આ તરફ વસુંધરા પણ નવવધૂના કપડાં ત્યજીને એક વીરાંગના બની આયુધ સજીને પતિના પડખે રહીને રણમેદાને લડવાની તૈયારી કરે છે. રાત્રીના ત્રીજા પહોરે બે શ્વેત અશ્વો હણહણાતી કરતાં તેજોમય વીર અને વીરાંગના સવારી કરતાં રાજમહેલની બહાર નીકળે છે. દુશ્મનોનો સાક્ષાત કાળ બની વીરસિંહ મરુભૂમિમાં આગળ વધી રહયો હતો. પરણ્યાની પ્રથમ રાતે સજાવેલી સુંવાળી સેજ છોડીને મા બાપનાં મોતનો બદલો લેવા જતાં આ શૂરવીર પતિ અને વીરાંગના વસુંધરાનાં ઘોડાઓ વીજળી વેગે રણનો માર્ગ કાપી પોતાનાં રાજ્યનાં ગઢની લગોલગ આવીને ઊભાં રહ્યાં હતાં. વસુંધરે પુરુષવેશ ધારણ કર્યોં હોવા છતાં તેનું ગોરું મુખડું ચન્દ્રમાંના પ્રકાશમાં ઝળહળી રહ્યુ હતું. વીર જોઈને બોલ્યો,"મુખડું તારુ મલકે, ને હૈયું મારુ આ છલકે વ્હાલની વહેતી નદીમાં ડૂબીને બેઉં બહેકે." આ તરફ રાજકુમારી મધુમતીને રાત્રે સમાચાર મળ્યાં કે નવપરણિત વીર અને વસુંધરા બદલો લેવા સાથે ગયાં છે. આ વાત તેમણે મહારાજને કરતાં મધુમતીના પિતા પોતે રાજનાં ચુનંદા સૈનિકો અને વનવાસી રાજા સાથે પોતાનાં ભાણેજ વીરની સહાયતા માટે ઝડપથી ઘોડા દોડાવી રહ્યાં હતાં. વીર પોતાનાં ઊંચા ગઢની પાસે પહોંચી પાળેલી પાટલા ઘો બહાર કાઢી મજબૂત દોરડું બાંધી ગઢની દીવાલ પર ફેંકી. ઘો ઉપર ચોંટી જતાં છાનાંમાના દીવાલ પર ચડી ગયાં અને જેવાં દીવાલ કૂદીને અંદર પડ્યાં કે તરત જ તેમની આજુબાજુ દશેક સૈનિકો શમશેર સાથે વીંટળાઈ વળ્યાં. ગઢનાં રક્ષક મજબૂત બાંધાના કોટવાલે આવીને પૂછ્યું,"કોણ છો તમે? સાચું કહો, નહીતર માથું ધડથી અલગ કરી નાખીશ." વીરસિંહ સાવજની ગર્જના કરીને બોલ્યો,"હે મારાં નગરવાસીઓ હું મારાં પિતાની છેતરીને હત્યા કરીને અમારું રાજ્ય પડાવી લેનાર દગાબાજ પ્રધાનપુત્ર મેઘરાજનું મોત બનીને આવ્યો છું. અને તમે પણ મારાં રસ્તામાં આવશો તો મોતને વહાલું કરવું પડશે." "મહારાજ વીરસિંહની જય હો." કોટવાલ હથિયાર નીચે મૂકતાં બોલ્યો,"હું આપણા પિતાજીનો વફાદાર સૈનિક હતો, મને ગઢનો રક્ષક આપનાં પિતાજીએ બનાવેલો છે. મને ભરોસો હતો કે આપ જરૂર આવશો, તમારાં રાજની પ્રજાને આ દ્રુષ્ટ રાજાનાં ત્રાસથી છોડાવવા માટે. આપનું સ્વાગત છે." કુંવર વીરસિંહ મોટા થઈને ફરી નગરમાં પધાર્યા હોવાના સમાચાર નગરમાં ફરતાં થયાં એટલે રાજની મોટાભાગની સેનાએ હથિયાર હેઠા મૂકી પોતાનાં ભાવી રાજાનું સ્વાગત કર્યુ. હવે દુશ્મન મેઘરાજ મંદિરાના નશામાં સુઈ રહયો હતો. વીરસિંહ અને ચાંદ એ સીધાં જ મહેલમાં પ્રવેશ કર્યોં, થોડાં તે મેઘરાજનાં વફાદાર લોકોએ હુમલો કર્યોં તો વીરસિંહે દુશ્મનનાં ગણ્યાં ગાંઠ્યા સૈનિકોને ગાજર મૂળાની જેમ જ વાઢી નાખ્યાં. બાકીનાં સૈનિકોએ શરણાગતિ સ્વીકારી. આ તરફ મામા અને મધુમતી ઝીંઝુવાડા રાજનાં ચુનંદા સૈનિકો સાથે ભાણેજની મદદે પહોંચી ચુક્યા હતાં નગરમાં.